અહીંયા દરેક વિદ્યાર્થીની પોતાની આગવી ઓળખ છે કેમ કે અહીં સર્જનાત્મકતા શિક્ષણનો પ્રાણ છે. ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડે સ્કૂલ પણ ઉપલબ્ધ છે જો કે, અન્ય ડે સ્કૂલથી અલગસિસ્ટમથી અહીં ડાયેટ ચાર્ટ મુજબબાળકોને ભોજન પીરસવમાં આવે છે અને ડે સ્કૂલ એટલે સવારેથીબાળકોને નામ પૂરતા સાચવવા એવી બિંબાઢાળ પદ્ધતિથી અલગ રીતે અહીં ડે સ્કૂલના બાળકો માટે બે પિરિયડ બાદ પૂરતો વિરામ આપી ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવશે. ગ્રીનવેલી સ્કૂલ શુ છે તે અંગે પ્રકાશ પાડતા વિનોદ ખાંડીવાર ઉમેરે છે કે, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલ એટલે પ્રાકૃતિક સૌદર્યનાં સાનિધ્યમાં આવેલીપ્રદેશની પ્રથમ 'કોન્સેપ્ટ સ્કૂલ' છે. અહિયાં વિદ્યાર્થી પોતાની ખરી આવડતનો પરિચય કરે છે કારણ કેગ્રીન વેલીમાં પ્રકૃતિમાતાના ખોળામાં જીવનની સમજણ મેળવે છે. ગ્રીન વેલી સ્કુલ આનંદ દ્વારા કેળવણીની હિમાયત કરે છે. અમે મક્કમપણે એવું માનીએ છીએ કે જયાં સુધી વિદ્યાર્થીને કેળવણીમાં આનંદઆવે ત્યાં સુધી તેનું ઘડતર થતું નથી. એટલેગ્રીન વેલીમાં કેળવણીનું ભાવાવરણ, ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ, હાઇ-ટેક ડીજીટલ લેન્સ, અનુબંધ આધારિત શિક્ષણ, રમત-ગમત દ્રારા ચારિત્ર નિર્માણ, મુલ્યનિષ્ઠ કેળવણી, ડાન્સ, ડ્રામા, રાઇફલ શૂટિંગ, હોર્સ રાઇડીંગ અને કૌશલ્ય-આધારિત મોડેલ આધારે શિક્ષણ અને ઇતર પ્રવૃત્તિઓને સાંકળી લેવામાં આવી છે.